તમે કઈ કોલેજમાં અને કયા વાતાવરણમાં પીએચડી કરવા માંગો છો તે નક્કી કરો. કારણ કે એકવાર તમે પીએચડી શરૂ કરો તો તમારું જીવન સંપૂર્ણપણે વાદળછાયું થઈ જશે. યુજીસી પરીક્ષાના પાછલા વર્ષના પેપરો ઉકેલો. પ્રશ્નો શોધવા અને પૂછવાનું શીખો. અને તમારા સલાહકાર અને શુભેચ્છકોને તમારા વિષય અને પીએચડી સંબંધિત પ્રશ્નો પૂછતા રહો. કૉલેજ વર્ષો દરમિયાન પીએચડી વિદ્યાર્થીઓનું અવલોકન કરો. પીએચડી ના વિષય જેમ કે અમે તમને કહ્યું હતું કે પીએચડી માટે કયો વિષય લેવો જોઈએ, તે સંપૂર્ણપણે તમારા પર નિર્ભર છે. પીએચડીનો સરળ અર્થ એ છે કે કોઈ વિષયમાં વિશેષતા મેળવવી. અને તમે જે વિષયનો આનંદ માણો છો તેમાં તમે નિષ્ણાત બની શકો છો. તેમ છતાં, તમને મદદ કરવા માટે, અમે કેટલાક વિષયોની સૂચિ આપી છે જેમાં તમે પીએચડી કરી શકો છો. પીએચડી કર્યા પછી, તમે કોઈપણ કોલેજમાં પ્રોફેસર અને લેક્ચરર તરીકે કામ કરી શકો છો. આ એક ડોક્ટરલ ડિગ્રી કોર્સ છે, જે કર્યા પછી તમારા નામની આગળ ડોક્ટર હોય છે અને તમને પ્રતિષ્ઠા મળે છે. જો તમે જે ક્ષેત્રમાં રસ ધરાવો છો તે ક્ષેત્રમાં સંશોધન કરો છો, તો તમે તેના વિશે નવી વસ્તુઓ જાણો છો અને તમે તે ક્ષેત્રમાં યોગદાન આપવા સક્ષમ છો. સંશોધન કરતી વખતે, તમે ઘણા રસપ્રદ સ્થળોની મુલાકાત લઈ શકો છો અને લોકોને મળી શકો છો.